અકબર બોલ્યા: બોલ શેઠ, તારે શું કહેવું છે? હુકમચંદ બોલ્યા: નામદાર, હું શું કહું? તમે મારું અપશુકનિયાળ મોઢું જોયું તો ઘણી જ ખરાબ ઘટનાઓ બની. તે બદલ હું દિલગીર છું. પણ મને વિચાર આવે છે કે મેં તો તમારૂં જ મોંઢું જોયું હતું અને મને ફાંસી મળી. હવે આપ જ કહો -વધારે અપશુકનિયાળ મોંઢું કોનું? રાજા તો વિચારમાં પડી ગયા. પછી હસતા હસતા બોલ્યા: છોડી દો શેઠને અને માન સાથે તેમને દરબારમાં લઈ આવો. બધા જ બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા પણ બોલી ઉઠ્યા: બિરબલ, તું નાહોત તો આ ગુણવાન શેઠને ગુમાવત. તેએ મારાં અને રાજ દરબારની લાજ રાખી. તારો ખૂબ ખૂબ આભાર. શેઠ હુકમચંદ જમવા બેસતા હતા. સોનાની થાળી અને સોનાના વાટકા, સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓ.. કારણકે હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા. જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી. ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો પકડી શેઠની સેવામાં હાજર હતા. દાસ-દાસીઓ પીરસવા તૈયાર ઉભા હતા. ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા: શેઠ, ચાલો. રાજા હમણાંને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ઘાલી દેજો. માટે શેઠ, તમે તરત આગળ ચાલવા માંડો. હુકમચંદ શેઠને ગુસ્સો તો ઘણો જ આવ્યો, પણ શું કરે? આ તો શાહી ફરમાન હતું એટલે જવું જ પડે ને? શેઠ તો ચાલ્યા. રાજ દરબારમાં રાજા સિંહાસન પર બેઠેલા હતા અને ગુસાથી દ્રુજતા હતા, આંખો લાલચોળ હતી. હુકમચંદ શેઠને જોઇને બોલ્યા: આ માણસને હાલને હાલ ફાંસી આપો. હુકમચંદ તો નવાઈ પામી ગયા કે મારો કયો ગુનો થયો છે? પણ રાજા આગળ કશું જ બોલી શકાય થોડું? સેવકો તેમને ફાંસીના માંચડા પાસે લઈ ગયા. કેટલાક શાણા માણસો હતા, તેમને થયું કે આ તો બહુ જ ખોટું થઈ રહ્યું છે. પણ રાજાને સમજાવે કોણ? બધાએ કહ્યું: બિરબલને મળો. તે ખૂબ ચતુર છે અને રાજાને માત્ર તે જ સમજાવી શકશે. બે-ચાર જણ દોડ્યા બિરબલ પાસે અને બધી વાત કરી. બિરબલ બોલ્યા: કશો વાંધો નહીં. તમે તમારે જઓ અને હું બાદશાહને સમજાવું છું. બિરબલ રાજા પાસે ગયા અને બોલ્યા: નામદાર, આ બિચારા હુકમચંદનો એવો તો શો ગુનો છે કે તમે તેમને ફાંસીના માંચડે લટકાવવાનું કહો છો? અકબર બોલ્યા: બિરબલ, તું વચમાં બોલીશ જ નહીં. આ અપશુકનિયાળ માણસ મારા રાજ્યમાં જોઈએ જ નહીં. આજે સવારે સૌથી પહેલું મોઢું મેં તેનું જોયું અને બધું ખરાબ જ બન્યું